પૂજારા અને રહાણે લોકપ્રિય હતા પરંતુ આધુનિક સમયના પ્રભાવશાળી ન હતા. તેમના ડ્રોપિંગથી સહાનુભૂતિ પેદા થઈ પરંતુ આક્રોશ નહીં. તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય હતા પરંતુ વલણો અથવા સામૂહિક વર્ચ્યુઅલ વિરોધનું આયોજન કરી શક્યા ન હતા. ભારતીય ટીમમાંથી, જો પૂજારા, રહાણે અને સાહાને 'બીજો પવન' મળવાની આશા હોય, તો તેઓએ પોતાનું ઘાસ અને પોતાનું આકાશ શોધવું પડશે. તેમની પાસે દ્રવિડ જેવી લક્ઝરી નહોતી. તેઓ ત્યજી દેવામાં આવ્યા હતા અને હવે તે તેમના પર નિર્ભર છે કે તેઓ તેમના પાછા ફરવાનો માર્ગ શોધે છે. સસેક્સ માટે પુજારાની રેકોર્ડ બ્રેકિંગ સિઝનમાં તે તેની હકાલપટ્ટીના મહિનાઓમાં ટીમમાં પાછો ફરતો જોવા મળશે. પરત ફર્યા પછી, તે બાંગ્લાદેશ સામે સદી મેળવશે અને મહિનાની બાબતમાં, ટીમ મેનેજમેન્ટ તેનો અભિપ્રાય બદલી દેશે, વિશ્વસનીય નંબર પર પુજારા ફરી એકવાર ટીમનો બેટિંગનો મુખ્ય આધાર હતો. હાલમાં, જ્યારે તેના તમામ સાથી ખેલાડીઓ સ્લેમ-બેંગ સંસ્કરણમાં વ્યસ્ત છે, ત્યારે પૂજારા ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહેલા ગોરાઓમાં છે. કેએલ રાહુલ સામે ટેસ્ટ કેપ્ટનશીપની રેસમાં હારી ગયેલો વ્યક્તિ, કોઈપણ સ્તરે કોઈ ટીમનું નેતૃત્વ કરવાનો અનુભવ ધરાવતો ખેલાડી, હવે સસેક્સના પ્રેરણાત્મક સુકાની તરીકે વખણાઈ રહ્યો છે. યુવા ટીમના ઈન્ચાર્જ, ઓસ્ટ્રેલિયાના સ્ટાર સ્ટીવ સ્મિથ સાથે વિદેશી સાઈનિંગ તરીકે પુજારાએ ચાર મેચમાં ત્રણ સદી ફટકારી છે. તેની સાથે સુકાન, સસેક્સ પ્રમોશનનું સ્વપ્ન જોવાની હિંમત કરે છે. આઇપીએલ ફાઇનલના થોડા દિવસોમાં જ શરૂ થનારી ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના બોલરોનો સામનો કરવા માટે તે શ્રેષ્ઠ રીતે તૈયાર છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. સીઝનની પ્રથમ બે મેચો માટે બહાર બેઠા પછી, કેમ્પમાં શ્રેણીબદ્ધ ઇજાઓએ રહાણેને તેની પ્રથમ પ્લેય આપી હતી. તે વાનખેડે ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે હતું કે ઈન્ડિયા રિજેક્ટને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું હતું. રમતના અંતે, એમસીએના સભ્યોના પેવેલિયનમાં થોડી ધુમ્મસભરી આંખો હશે, જ્યાં મુંબઈના ભૂતકાળના ક્રિકેટરો બેઠા હતા.